ત્યારે ચારસો એક કર્મીઓને ભારે શિક્ષા, ચાલીસ સામે પેન્શન નિયમો હેઠળ અઠ્ઠાવન ને નાની શિક્ષા, સાઇઠ સામે અન્ય ભલામણો કરવામાં આવી હતી, ત્યારે પાંસો એકાવન કેસમાં પ્રાથમિક તપાસ કરવાનું નહીં જણાતા પ્રકરણ દફ્તરે કરવાની ભલામણ કરાઇ હતી. અવાર-નવાર અ ગુજરાત તકેદારી વિભાગ દ્વારા ભલામણો કરવામાં આવતી હતી. જેન ધ્યાનમાં લઇને અધિકારીઓ દ્વારા કુલ બસો એકયાસી અધિકારી-કર્મચારીઓને કડક સજા આપવામાં આવી હતી. વર્ગ એક ના સિત્યોતેર અધિકારીઓને સજા આપવાનું કહેવામાં આવ્યું હતું, જેમાં માત્ર પાંચ અધિકારીઓને મોટી સજા અપાય હતી, જયારે ઓગણચાલીસ અધિકારીઓને પેન્શન કાપ મુકવામાં આવ્યો હતો, તેત્રીસ અધિકારીઓને ગૌણ સજા આપવામાં આવી હતી. વર્ગ બે ના એકસો ત્રણ અધિકારીને સજા આપવામાં આવી હતી જેમાં પાંચ અધિકારીઓને મોટી સજા આપવામાં આવી હતી, ઓગણપચાસ અધિકારીઓને પેન્શન કાપ મુકવામાં આવ્યો હતો, ઓગણપચાસ અધિકારીઓને ગૌણ સજા આપવામાં આવી હતી. વર્ગ-ત્રણ ના એકસો એક કર્મચારીઓને સજા આપવામાં આવી હતી. કેશુ બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ ચોવીસ જુલાઈ ઓગણીસો અઠયાવીસ ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રી પદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ વેઠ્યો છે. કેશુભાઈના નિધન બાદ તેમના પુત્ર ભરત પટેલે જણાવ્યું કે, કોરોના પછી તેમનું સ્વાસ્થ્ય કથળી રહ્યું હતું. સવારે ઓક્સિજન લેવામાં તકલીફ પડી, હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધારીની ચૂંટણી સભામાં જ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સિવાય દેશભરના નેતાઓ હાલ ટ્વીટ કરીને કેશુભાઈને શ્રદ્ધાંજલિ આપી અર્પી રહ્યા છે. થોડા દિવસ પહેલા પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ એવા કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા હતા. કેટલાક દિવસથી કેશુબાપાની તબિયત નાદુરસ્ત હતી, ત્યારે તેમનો ટેસ્ટ કરાવાતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.